અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ સહભાગી સંરક્ષણમાં. અને અમારી પાસે વીસ શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે. અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે. તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે. તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે. અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યું આ પ્રથાને વધારવા અને ઊંડાણમાં ઉતારવા આ ફિલાડેલ્ફિયા છે. અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયાથી ફિલાડેલ્ફિયા લાવ્યા તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે, રેમોન વાસકેઝ હતા. સાંતા ક્લારાના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા કમ્યુનિટીને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે. અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિકનો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું. તે સમય સાચવવામાં કહેવાય છે. તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગમાં છીએ. અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગમાં આવે છે. જો તમે કઈ નહિ કરો. સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે. તેવી ભાષા છે, સિસ્ટમ યુઝ કરે છે, બજારના પરિણામનો ઉપયોગ કરવા. જો તમે જોડાશો અને તમે જો ભાગ લેશો, તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો. તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી, મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા, અમે વર્ષનો સમય કાઢ્યો છે. તે માતા-પિતા અને બાળકોના જીવન છે. જેલની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો, કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો ડોલર ખર્ચ થાય છે. મતલબ કે આ ફેમિલી તેમના રાજ્યને બચાવી રહ્યા છે. હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી, પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે માનસિક આરોગ્ય સેવાઓ માટે, સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે. આ શર્ટને અદાલતમાં પહેરીએ છીએ સમગ્ર દેશમાં બધે અને લોકો આ શર્ટ પહેરે છે કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે કોર્ટ રૂમમાં પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે. નવી ચળવળ, જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે. આભાર! કોઈ અન્ય અંગ, માનવ જીવનમાં કદાચ કોઈ અન્ય વસ્તુ નથી.